તેમણે રસી મેળવીને તમામ ચૂંટણી રાજ્યોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.. નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ માર્ચ ના રોજ દિલ્લીમાં એઈમ્સ ખાતે કોરોના વેક્સીનનો ડોઝ લીધો.. જો બાઈડેન અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને ડિસેમ્બરે કોરોના વેક્સીન લીધી હતી.. કમલા હેરિસ અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડિસેમ્બરે કોરોના વેક્સીન લીધી હતી.. માઈક પેન્સ અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે પત્નીની સાથે ડિસેમ્બરે લાઈવ ટીવી પર કોરોના વેક્સીન લીધી હતી.. બેન્ઝામીન નેતન્યાહૂ ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂએ ડિસેમ્બરે કોરોના સામે રસી લગાવનારા પહેલા ઈઝરાયલી નાગરિક બન્યા હતા.. મહારાણી એલિઝાબેઝ અને પ્રિન્સ ફિલિપ વર્ષના બ્રિટનના મહારાણી અને તેમના વર્ષના પતિને જાન્યુઆરીએ કોરોના વેક્સીન લગાવવામાં આવી હતી. બકિંગહામ પેલેસના પ્રવક્તાએ તેની જાણકારી આપી હતી.. જોકો વિડોડો ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જાન્યુઆરી ના રોજ કોરોનાની રસી લીધી.. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ડિસેમ્બર ના રોજ ફાઈઝર વેક્સીનનો ડોઝ લીધો.. તુર્કીના રાષ્ટ્રપતિએ જાન્યુઆરી ના દિવસે અંકારાના સિટી હોસ્પિટલમાં કોવિડ- ની વેક્સીન લીધી.. નેન્સી પેલોસી અમેરિકાના સ્પીકર ઓફ ધ હાઉસ નેન્સી પેલોસીએ ડિસેમ્બર ના દિવસે વોશિંગ્ટનમાં ફાઈઝરની વેક્સીનનો ડોઝ લીધો.. ગ્રીસના રાષ્ટ્રપતિએ ડિસેમ્બર ના રોજ એથેન્સની હોસ્પિટલમાં કોવિડ- વેક્સીન લીધી.. ગ્રીસના પ્રધાનમંત્રીએ પણ ડિસેમ્બરના દિવસે એટિકોન હોસ્પિટલમાં કોરોના વેક્સીન લઈને દેશવાસીઓને વેક્સીન સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.. શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમ દુબઈના શાસકે નવેમ્બરે ના રોજ ચીનની સિનોફાર્મ કંપનીની કોરોના વેક્સીન લીધી.